તુષાર જ. અંજારિયા જ્ઞાન સમૃદ્ધ વાતો પશુ-પંખીઓની એકતાએ જંગલ બચાવ્યું! બાળ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે માનવ વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આપણને રહેવા માટે જગ્યા જ ક્યાં છે? આપણે ગામડાં ભાંગી, ખેતરો વેંચી શહેરોની સરહદ વધારતા જ જઈએ છીએ. આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે જંગલો પણ કાપી નાખીએ છીએ એમાં બિચારાં નિર્દોષ પશુ-પંખીઓનો ભોગ લેવાઈ જાય છે. એક વખત શહેરના સ્થપતિઓએ મકાન બાંધવા માટે જમીન મેળવવા અને માલ સામાન માટે લાકડાં મેળવવા શહેર નજીકનું એક નાનું જંગલ પસંદ કર્યું. જંગલમાંથી વૃક્ષો કાપી નાખે તો ખુલ્લી જગ્યા મળી જાય જયાં મકાનો બાંધી શકાય. વૃક્ષોનાં લાકડાં પણ મળી જાય. એ લોકો એમની મોંઘી ગાડીઓ લઇ જંગલમાં ગયા. બધા ભેગા મળીને જંગલ કાપવાની યોજના નક્કી કરતા હતા. ત્યાં નજીકના વૃક્ષ પર દોડા દોડી કરતી ખિસકોલીઓએ એમની વાતો સાંભળી. જંગલ કપાવાનું છે એ જાણતાં જ ખિસકોલી તો ધ્રુજી ઉઠી. "અરે બાપ રે, જંગલ કપાઈ જશે તો આપણે સૌ જશું ક્યાં? " રોકકળ કરી મૂકી અને બધાં પશુ પંખીઓને ભેગાં કરી દીધાં. ખિસકોલીઓએ જે સાંભળ્યું હતું એ સૌને કીધું. માણસો જંગલ કાપીને ઘર બનાવશે એવું સાંભળીને કાગડાઓ હસા હસ કરવા લાગ્યા અને ખિસકોલીઓની મશ્કરી કરવા લાગ્યા. પરંતુ પોપટભાઈઓ એકદમ ગંભીર બની ગયા. શાણા પોપટે બધાંને કહ્યું, "મિત્રો, આ હસવાની વાત નથી. જો આ માણસો જંગલ કાપી નાંખશે તો આપણે સૌ ઘરબાર વગરના થઇ જઈશું અને પછી આપણા સંતાનોનું શું થશે? આપણી પેઢીઓ જ નાશ પામશે. માટે આપણે સૌએ ભેગાં થઈને આ દુષ્ટ માણસોને રોકવા જ પડશે. " શક્તિશાળી માણસ પાસે બાપડાં-બિચારાં પશુ પંખીઓનું શું ગજું? પરંતુ આ તો જીવન મરણનો સવાલ હતો એટલે સૌએ એક થઈને માણસોનો મુકાબલો કરવા યોજના ઘડી કાઢી. રાત દિવસ જંગલની ચોકી કરીને, માણસો જંગલ કાપવા આવે ત્યારે સૌ પશુ પંખીઓને જાણ કરી દેવાનું નક્કી કર્યું. આથી ઘેટાંઓ મોઢું ફેરવ્યા વગર જ એમની પાછળ શું છે તે જોઈ શકે છે. પ્રાણીઓએ સસલાં અને ઘેટાંની આ શક્તિઓનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું. જંગલની એક દિશાએ ઘોડાઓ ઉભા રહી ગયા. બીજી દિશાએ ઘેટાં ઊભાં રહી ગયાં. બીજી બે દિશાઓએ વૃક્ષો પર મોટા વાંદરા ચડી ગયા. વાંદરાઓની પીઠ પર નાનાં સસલાં બેસી ગયાં. ઊંચા વૃક્ષો પરથી તેઓ ચારે બાજુ શું થઇ રહ્યું છે તે જોઈ શકતા હતા. આમ જંગલની ચારે બાજુએ સજ્જડ ચોકી પહેરો થવા લાગ્યો.